આમ પણ હું મજાક કરતો હતો. "અચ્છા પપ્પા, મમ્મી ક્યાં છે? મમ્મીને હમણાં ફોન ન આપતા પહેલા મારી વાત સાંભળો." રાજીવે ટૂંકમાં ખીમજી પટેલની આઝમગઢ આવીને મળવાની વાત કહી. "હમ્મ રાજીવ, જવા દે બેટા, આ બધું છોડીને તું ઘરે પાછો આવી જા. આપણે કાંઈ નથી શોધવું, કોઈ રહસ્ય પણ નહીં અને ક્યાંય જવાની જરૂર નથી." "ક્યારના કોની જોડે આટલી લમણાઝીંક કરો છો? રાજીવને ફોન લગાડો તો મારે એની જોડે વાત કરવી છે. હમણાં જ," અનંતરાયની પાછળ આવીને ઊભી રહેતા સુજાતાએ કીધું. "સુજાતા, રાજીવનો જ ફોન ચાલુ છે, હું હમણાં તને બોલાવવાનો જ હતો." "તો લાવો ઝટ, પહેલાં મને વાત કરવા દો પછી તમે વાત કરજો અને તમારાથી પહેલા મને નથી કહેવાતું?" સુજાતાએ અનંતરાયના હાથમાંથી ફોન લઈ લીધો. "રાજીવ, બે દિવસથી તારા કોઈ સમાચાર નથી, તારો ફોન નથી આવતો તો મારો જીવ ઊંચો નીચો થઈ જાય છે. પહેલાં પ્રોમિસ કર મને તું સમય મળે એટલે ફોન કરતો રહીશ, અને સાંભળ." "મમ્મી,મમ્મી શાંત. મારી વાત તો સાંભળ. હું એકદમ મસ્ત છું, તું નકામી મારી ચિંતા કરે છે, અને હું સગાઈ સુધી પાછો આવી જઈશ. મમ્મી આઈ પ્રોમિસ, હું રોજ તને ફોન કરીશ, બસ." "સગાઈ સુધી આવી જઈશ એટલે? અરે દીકરા, ચાર દિવસ બાદ તારી સગાઈ છે અને હજી તું ત્યાં રોકાવાની વાત કરે છે. તારી બધી તૈયારીઓ પણ બાકી છે અને અનન્યાનો તો વિચાર કર, એ કેટલી આતુરતાથી તારી રાહ જોઈ રહી છે. બસ હવે વધુ નથી રોકાવાનું, કાલે જ પાછો આવી જા, સમજ્યો?" "પણ-બણ કાંઈ નહિ અને મારે કાંઈ નથી સાંભળવું," અનંતરાયે સુજાતા પાસેથી ફોન લઈને રાજીવ સાથે વાત ચાલુ રાખી. "રાજીવ, સુજાતા બરાબર કહે છે, હવે તું પાછો આવી જા." "ના પપ્પા, દરવાજા સુધી પહોંચ્યા પછી અંદર જવાને બદલે પાછો વળું તો મારી મહેનત એળે જાય, અને મારે ગમે એમ કરીને પણ આ આઝમગઢનું રહસ્ય તો જાણવું જ રહ્યું. ડોન્ટ વરી, હું સગાઈ પહેલા પાછો આવી જ જઈશ. હવે ફોન મૂકું છું, મારે અનન્યા સાથે પણ વાત કરવી છે. બાય, ટેક કેર, લવ યુ બોથ." રાજીવે ફોન કટ કર્યો અને અનન્યાનો નંબર જોડ્યો. "હેલ્લો, અનન્યા, અવાજ આવે છે મારો? અહીંયા નેટવર્કનો બહુ ઇસ્યુ છે, ઘડીકમાં અવાજ બરાબર સંભળાય ને ઘડીકમાં ડિસ્ટર્બન્સ આવે." "હાય રાજીવ, અવાજ સંભળાય છે બરાબર. ઇઝ એવરીથિંગ ઓકે?" અનન્યાએ પૂછ્યું. "ઓલ ઇઝ વેલ, તું બરાબર છે ને? અને એંગેજમેન્ટની